ઉપરાંત, જો તમે ઊર્જાને સંતુલિત કરવા માંગતા હો, તો તમારે વાયોલેટનો ઘાટો શેડ પસંદ કરવો આવશ્યક છે. વાયોલેટ રંગમાં સુંદર રીતે દોરવામાં આવેલી દિવાલબેડરૂમની દિવાલો માટે પિંક અને ઓરેન્જ બે કલર કોમ્બિનેશન ગુલાબી અને નારંગી રંગનું મિશ્રણતમારા બેડરૂમની સજાવટને મનોરંજક અને તેજસ્વી બનાવવાની બીજી રીત છે. ગુલાબી રંગ નારંગી માટે એક સંપૂર્ણ સાથી છે, ખાસ કરીને જો તમે બાળકના બેડરૂમને સજાવટ કરી રહ્યાં હોવ. ગુલાબી છત સાથે નારંગી દિવાલો બેડરૂમની દિવાલો માટે બે રંગના સંયોજન માટે નારંગી સાથે પરફેક્ટ રંગ કેવી રીતે પસંદ કરવો? બેડરૂમની દિવાલો માટે બે રંગના સંયોજન માટે નારંગી સાથે આદર્શ રંગ પસંદ કરવાની તમારી પ્રક્રિયાને સરળ બનાવવા માટે, અહીં કેટલાક નિર્દેશો છે. તમારા રૂમના ઓરિએન્ટેશનને ધ્યાનમાં લો તમારા રૂમનું ઓરિએન્ટેશન નારંગી સાથે બે રંગના સંયોજનને પસંદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણછે કે તમારો બેડરૂમ ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ તરફ છે તેના આધારે પ્રકાશની ગુણવત્તા અલગ પડે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર તરફના બેડરૂમમાં ઠંડો પ્રકાશ હશે અને તેથી, પીળા અથવા ગુલાબી અને નારંગી જેવા શેડ્સ સાથે ગરમ થવાની જરૂર પડશે. શું તમે મોડેથી સૂઈ જાઓ છો કે વહેલા ઉઠો છો? જેમ કે બેડરૂમ એક વ્યક્તિગત જગ્યા છે, તેને તમારા વ્યક્તિત્વ પ્રમાણે સજાવવી જોઈએ. તેથી, તમારી જાતને પૂછો કે તમે સવારના છો કે રાત્રિના વ્યક્તિ. જો તમે સવારના વ્યક્તિ છો, તો તમારે નારંગી સાથેની દિવાલો પર ઉત્સાહી રંગ પસંદ કરવો જોઈએ, અને જો તમે સાંજના વ્યક્તિ છો, તો મોટા ભાગે તમે વાદળી અને નારંગી જેવા ઘાટા શેડ સાથે સમાપ્ત થશો. તમારા પલંગના હેડબોર્ડથી પ્રેરણા લો બેડ અને તેનું હેડબોર્ડ કોઈપણ બેડરૂમના કેન્દ્રબિંદુ છે. તેથી, જો તમે બેડરૂમની દિવાલો માટે બે રંગના મિશ્રણની યોજના ઘડી રહ્યા હોવ, તો તમે તમારા પલંગના હેડબોર્ડનો રંગ નારંગી સાથે મિશ્રિત કરવા માટે પસંદ કરી શકો છો. બેડરૂમ પેઈન્ટના રંગો સાથે વોલપેપરને જોડો બેડરૂમની દિવાલો માટે બે રંગનું અનોખું સંયોજન મેળવવા માટે, તમે તમારા બેડરૂમની નારંગી દિવાલો સાથે મોનોક્રોમેટિક ટોન સ્કીમ માં વૉલપેપર મિક્સ કરી શકો છો. બેડરૂમની દિવાલો માટે ઓરેન્જ ટુ કલર કોમ્બિનેશન પરની વાસ્તુ તમારા બેડરૂમની દિવાલોને રંગવા માટે, તમારે રંગો પસંદ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, તમારા બેડરૂમ માટે ઘણા યોગ્ય છે. જો કે, બેડરૂમની દિશા તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો બેડરૂમ દક્ષિણ દિશામાં હોય તો તમારા બેડરૂમ માટે નારંગી રંગની ખૂબ ભલામણ કરવામાં આવે છે. રંગ આનંદ, ઉર્જા અને ગરમ વાઇબ્સનું પ્રતીક છે. રંગ જોડાણો બનાવવામાં મદદ કરે છે અને